ખગોળશાસ્ત્રીઓ જોડેથી માહિતી લઈને બનવાયેલું આ ઉપકરણ ગાઈડ, નેવિગેશન અને સ્પેસક્રાફ્ટને નિયંત્રિત કરી શકતું હતું. જયારે અવિશ્વસનીય કોમ્યુટરોથી આખો ઓરડો ભરાઈ જતો હતો, ત્યારે અ. ગા. કો. એ એક પણ ત્રુટિ વગર ચાલવાનું હતું અને એક ઘન મીટરની જગ્યામાં ફીટ થવાનું હતું. દ્રાપર એ લેબને બે ટીમમાં વહેંચી કાઢી, એક હાર્ડવેર બનાવવા અને બીજી સોફ્ટવેર વિકસિત કરવા. હેમિલ્ટને ઓન-બોર્ડ સોફ્ટવેર બનાવવાવાળી ટીમનું કમાન્ડ અને લ્યુનાર મોડ્યુલ બંને માટે નેતૃત્વ કર્યું. આઆ કામ માટે, તેણીએ "સોફ્ટવેર એન્જીનીયરીંગ" શબ્દ બનાવ્યો કે જે ખરેખર ઊંચા દાવ પર હતો. દરેક પ્રોગ્રામ સંપૂર્ણ હોવો જોઈતો હતો કારણ કે તેમાં માણસોની જીંદગી હતી. જલ્દીથી ત્રુટિ શોધવી અને તેને રિકવર કરવી તે સોફ્ટવેર જોડેથી આશા હતી. પણ આ પ્રકારનો અનુકૂલનશીલ પ્રોગ્રામ બનાવવો મુશ્કેલ હતો કારણ કે પહેલાંના સોફ્ટવેરો માત્ર પહેલેથી આપેલા ક્રમમાં જ કામ કરતાં હતાં. આ સમસ્યા દૂર કરવા, હેમિલ્ટને "અતુલ્યકાલિક" પ્રોગ્રામ બનાવ્યો એટલે કે સોફ્ટવેરનું અગત્યનું કામ એ હતું કે ઓછા મહત્વવાળાને ખલેલ ઓછી પહોંચાડવી. તેણીની ટીમે દરેક કાર્યને એક અલગ જ પ્રાથમિકતા આપી કે જેથી દરેક કામ એક સાચા ક્રમમાં થાય અને સાચા સમયે-કઈ ઓચિંતું ન થાય. આ દરાર પછી, હેમિલ્ટને અનુભવ્યું કે તેનું સોફ્ટવેર ખગોળશાસ્ત્રીઓને તો મદદ કરે જ પણ સાથે જ અતુલ્યકાલિક પર્યાવરણમાં કામ પણ કરે. તેણીએ પ્રાથમિકતા દ્રશ્યપટની રચના કરી, કે જે ખગોળશાસ્ત્રીના ગોઠવેલા નિયત કાર્યને ઇમરજન્સીમાં આગાહ કરી શકે. પછી થી ખગોળશાસ્ત્રી નિયંત્રણ મિશન સાથે વાર્તાલાપ કરી શકે અને શ્રેષ્ઠ પથ શોધી શકે. આનાથી પ્રથમ વખત ફ્લાઇટ સોફ્ટવેર દ્વારા પાયલોટ સાથે સીધો અને અસુમેળ રીતે સંચાર થયો. ચંદ્ર પર ઉતરાણ પહેલા આ નિષ્ફળ-સલામતોએ એલાર્મ વગાડી દીધાં હતાં. બઝ એલ્ડ્રીનને તરત જ તેની ભૂલ સમજાઈ એને ભૂલથી રડારની સ્વિચ ફ્લિપ કરી દીધી હતી. આ રડાર તેમના ઘરે જવા માટે જરૂરી હશે, પરંતુ અહીં તે મહત્વપૂર્ણ કોમ્પ્યુટેશનલ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું હતું. સદનસીબે, એપોલો ગાઇડન્સ કોમ્પ્યુટર આનું સંચાલન કરવા માટે સારી રીતે સજ્જ હતું. ઓવરલોડ દરમિયાન, સૉફ્ટવેર રિસ્ટાર્ટ પ્રોગ્રામો માત્ર ઉચ્ચ અગ્રતા ધરાવતા કાર્યો પર પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે જેમાં ઉતરાણ માટે જરૂરી પ્રોગ્રામોનો સમાવેશ થાય છે. પ્રાયોરિટી ડિસ્પ્લેએ અવકાશયાત્રીઓને પસંદગી આપી હતી ઉતરવું કે ન ઉતરવું. થોડી મિનિટો બાકી હોવાથી, મિશન કંટ્રોલે ઓર્ડર આપ્યો. અગિયાર. લેન્ડિંગ એ અવકાશયાત્રીઓ, મિશન કંટ્રોલ, સૉફ્ટવેર અને હાર્ડવેર વિશે હતું જે તમામ સિસ્ટમોની એકીકૃત સિસ્ટમ તરીકે કામ કરે છે. એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોના કાર્ય માટે હેમિલ્ટનનું યોગદાન આવશ્યક હતું. જે પ્રમુખ જ્હોન એફ. કેનેડીના ચંદ્ર સુધી પહોંચવાના લક્ષ્યથી પ્રેરિત હતું. અને